શાંતા આજે સવારથી આંટા મારતી હતી. ચાલવાની તકલીફ હતી. કશુંક બનશે તેવી એં એંધાણી તેને લાગતી હતી, પણ શું? એ પ્રશ્નનો ઉત્તર મળતો ન હતો. રોજ સવારના નવ વાગ્યા સુધી વહુ ચા ન આપે. ચા પિવાઈ જાય પછી દરેક મિનિટે ચાર બિસ્કિટ આપી જાય. શાંતાને પગની તકલીફ હતી, તેથી ઊભા થઈને ચાલવાની આળસ આવતી. કોઈ કોણ જાણે કેમ આજે બધી આળસ દુમ દબાવીને ભાગી ગઈ હતી. હૈયામાં ચેન પડતું નહીં. ચા પણ આજે સાડા સાતે મળી. આશ્ચર્ય તો ત્યારે થયું જ્યાં જ્યારે તેની સાથ બિસ્કિટ પણ આવ્યા. તેને મનમાં થયું જરૂર દાળમાં કાંઈ કાળું છે. મન કોઈ રીતે માનતું ન હતું. જવાબ મેળવવો હોય પન કાની કોની પાસેથી? વહુ તો બોલે ત્યારે દાંતિયા કરતી હોય, અથવા મ્હોં મચકોડતી હોય. દીકરો વાત કરવા આવે તો પેલી પાસળ ઊભી જ હોય. જાણે મા અને બેટા તેની જ વાતો ન કરવાના હોય! ખેર પગ દુખતા હતાં સતા આંટા મારવાનું બધ્ધ બંધ ન થયું. સોકરાઓને તો શાળાએ જવાની ધમાલ હોય. દાદી સાથે શું વાત કરે? ચા પીને માળા ફેરવવા બેઠી પન ડાબી નહીં જમની આંખ ફરક ફરકતી હતી. હવે, તો ખરેખર હ્રદયમાં ધ્રાસકો પડ્યો! કશુંક અશુભ બનવાનું છે. આજે વર્ષો થયા ભર જુવાનીમાં સતીશ, અકસ્માતમાં શાંતાને સોડી વિદાય થયો હતો. શાંતાએ એકલે હાથે સરિતા અને સમીરને મોટા કર્યા. ભણાવ્યા, ગણાવ્યા અને ઠેકાણે પાડ્યા. સરિતા નસીબવાળી નીકળી. દેખાવ દેખાવડી હોવાને કારણે સાહિલ તેને પરણીને લંડન લઈ ગયો. લડંનમાં તેનો ધીકતો ધંધો હતો. સરિતા અવારનવાર માને લંડન લઈ જતી. શાંતાને દીકરીને ત્યાં અડવું લાગતું. જતી પણ અદ્ધર મને રહેતી અને પાસી આવતી. શાંતા ખૂબ સાલસ હતી. તેને દીકરાની સાથે પણ બહુ ગમતું નહી. દીકરો લાખ તેના પર વારી જાય પણ તેની વહુની આંખો વાંચવામાં તે સફળ નિવડી હતી. બાળકોને તો જાણે,દાદી પાસે જાય તો અભડાઈ ન જાય તેમ રાખતી. ખેર, દીકરાનો જીવ સાચવવા રહી હતી. તેની બાળપણની સખી રમા તેને અવારનવાર મળતી. તેની સાથે દિલ ખોલીને વાત કરતી. રમાએ પોતાની સાસુમા પાસળ ગામમાં 'અપના ઘર' નામની સંસ્થા ચાલુ કરી હતી. જે સ્ત્રીઓને ઘરમાં કોઈ ન સંઘરે તેવી સ્ત્રીઓને ઉદ્યમ શીખવી, માન ભેર રાખતી. કોઈને નાનમ ન લાગે અપના ઘરમાં રહેવાથી. શાંતાની આંખે જે ઈશારો કર્યો તે સાચો હતો. સમીર આજે વહેલો નોકરી પરથી આવ્યો, અને માને કહે, "ચાલ મા આજે તને ફરવા લઈ જાઉં. સાથે મોટી હોટલમાં જમવા લ જઈશું." સમીરની પત્ની સલોની બોલો, "હા, બા તમે બન્ને આજે જાવ મારે લેડીઝ મિટિંગમાં જવાનું છે."